કોઈની સાથે વાત કરવા થોડો સમય કાઢો જેની સાથે તમે સામાન્ય રીતે વાત કરતા નથી. હું ખાતરી આપું છું, જો તમે તે કરો છો, તમે મૂર્ખ અનુભવશો. તે મુદ્દો છે. મૂર્ખ બનો. સારું, મારે ઓસ્ટિન જવું છે, અને મારે ઘરે રહેવું છે. આપણા મિત્રોને આમંત્રણ આપો પણ એકલા રહો. કોઈને માટે જીવો. તે સારું ભજવે છે. મૂર્ખ હોવા માટે દરેક મારો આદર કરો. શુભ સાંજ. હાર્લેમ ચિલ્ડ્રન્સ ઝોન ખાતે કામ કરવું આશીર્વાદ રૂપ છે, આફ્રિકન-અમેરિકા હેઠળની સંસ્થા, જેણે આ ક્ષેત્રને પહેલ કરી પારણું થી કારકિર્દી સુધી, વ્યાપક સ્થાન-આધારિત સેવાઓ. અને તે શબ્દ, "વ્યાપક", આપણે શું કરીએ છીએ તેની ચાવી છે. મોટાભાગના હસ્તક્ષેપો એક ટુકડા પર ધ્યાન કરે છે એક જટિલ, વિશાળ પઝલના. પરંતુ તે પઝલ હલ કરવા માટે પૂરતું નથી. તમે ઘરના સંદર્ભને સમજ્યા વિના શિક્ષણનું સમાધાન લાવતા નથી અથવા તમારા યુવાન વિદ્વાનના ઘરનું વાતાવરણ. અથવા આરોગ્ય, પોષણ અથવા ગુનાહિત ન્યાયનો વ્યાપક સંદર્ભ. અમારા માટે પરિવર્તનનું એકમ વ્યક્તિગત બાળક નથી, તે આખો પડોશ છે. તમારે એક જ સમયે બહુવિધ વસ્તુઓ કરવી પડશે. અને આ સાબિત કરવા માટે અમારી પાસે વીસ વર્ષનો ડેટા છે. અમારી પાસે અમારી બેબી કોલેજના સ્નાતકો છે, અમે અમારી શાળાઓમાં ધોળા-કાળા નું અંતર કાઢી નાખ્યું છે. અમે અમારા આરોગ્ય કાર્યક્રમોમાં સ્થૂળતાના દરમાં ઘટાડો કર્યો છે અને લગભગ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. અમે એક સાથે સેવાઓનો ચોખ્ખો વણાટ એટલા કડક રીતે વણાવીએ છીએ, જેથી કોઈ પણ તિરાડોમાંથી પસાર ન થાય. અને અમે વૈશ્વિક પ્રેક્ટિશનરોને પ્રેરણા આપી છે. યુ. એસ. માં આપણી પાસે પાંચસો થી વધુ સમુદાયો છે અને સિત્તેર થી વધારે દેશો અમારું મોડેલ શીખવા માટે મુલાકાત લે છે. તમે જોશો,વૈશ્વિક સમસ્યાઓ, અને વિશ્વની સમસ્યાઓ, ડોલમાં સરસ રીતે કાપવામાં આવતી નથી. તેથી ઉકેલો વ્યાપક હોવા જોઈએ, તેઓ સાકલ્યવાદી હોવા જોઈએ. અને હવે આપણે વૈશ્વિક રોગચાળાની વચ્ચે છીએ. કોવિડ -નાઈનટીન એ જાહેર કર્યું છે કે આપણે હંમેશાં સાચું હોવાનું જાણતા હતા. આપણામાં સૌથી ગરીબ લોકો તેમના જીવન અને આજીવિકા સાથે સૌથી વધુ કિંમત ચૂકવે છે. અને તે દરરોજ આફ્રિકન અમેરિકન સમુદાયમાં રમી રહ્યું છે, જ્યાં આપણે કોવિડથી મૃત્યુ પામવાની સંભાવના છ પોઇન્ટ છ ગણી વધારે છે અમારા સફેદ સમકક્ષો કરતા. પરંતુ હાર્લેમ ચિલ્ડ્રન્સ ઝોનના કાર્યને વધુ સારી રીતે સમજવા માટે, હું વાર્તા શેર કરવા માંગુ છું, સીન નામના બીજા-શ્રેણીના। વિદ્વાન વિશે. સીન એક સુંદર છોકરો છે જેનું સ્મિત કોઈપણ ઓરડામાં પ્રકાશ પાડશે કે તે અંદર છે. અને જ્યારે માર્ચમાં સંસર્ગનિષેધ શરૂ થયો, અમે જોયું કે સીન